વસુંધરા ને વીરની પ્રેમગાથા:- અફાટ રણની વચ્ચે આવેલ નાનકડાં બેટ પર થોડી વનસ્પતિઓ અને વખડાઓનાં ઝાડનો છાંયો હતો અને ગાંડા બાવળથી આખો બેટ છવાયેલો હતો. બેટની ઉપર નાનકડું મંદીર અને એક શૂરવીરનો પાળિયો સિંદૂરથી રંગાયેલો હતો. આ બેટ પર પાંચસો જેટલી ગાયો ને પચાસેક નંદી વસવાટ કરતા હતાં. થોડા કુતરાઓ પણ જાણે રસ્તો ભૂલીને આવી ગયેલાં હતાં. આ વેરાન બેટ પર એકમાત્ર મજબૂત જુવાન નિવાસ કરતો હતો, અને તે ખુબ જ શાંત ચિત્તે ગાયોની અને કૂતરાઓની સેવા અને મંદિરની પૂજા આરતી નિયમિત કરતો. ચોમાસાનાં ચાર મહિના આ બેટ આખો ચારેકોર માથાં સુધી પાણીથી છવાઈ જતો, ત્યાં દર્શન કરવા આવતાં આજુબાજુના લોકો ગાય માટે ચારો અને સીધું સમાન મોકલતા, જે જુના મકાનમાં સંઘરી રાખીને તે જુવાન ચોમાસામાં ઢોરને ખવડાવીને અબોલ જીવોને બચાવતો. લોકો આ રણનાં અનુભવી ભોમિયા મનાતાં જુવાનને વીરભાઈ કહીને સંબોધન કરતા. આ વીરભાઈ વિશે કોઈ પણ વઘુ જાણતું ન હતું. તોયે વીરભાઈ આજુ-બાજુનાં આખા પંથકમાં એક મજબૂત સેવાભાવી ભક્તિવાન જુવાન તરીકે પ્રસિદ્ધ હતો. આ બેટ તે સમયે અજેય ગણાતા મજબૂત ઝીંઝુવાડા ગઢના મખવાન ઝાલા રાજવીના તાબામાં હતો. વીર એટલે માત્ર નામથી જ નહીં, બાહુબળ અને સ્ફૂર્તિમાં પણ અજોડ હતો. આખો દિવસ ગૌસેવા બાદ રાત્રીએ પણ અંધારામાં બાજ નજરે ચોકી કરતો. ઘણાં લોકોએ જોયો હતો. દેખાવે સોહામણો, કોઈ રાજકુંવર લાગતો. અભિમાન રહિત તે રોજે સવારે બ્રહ્મણ મુર્હુતે ધ્યાનમાં બેસી ચિત્તને શુદ્ધ કરીને પછી સતત દોઢેક કલાક અંગ કસરત કરતો. રણમાં ઊડતી ભયંકર રેતની ડમરીઓમાં તે પવનવેગે દોડવાની તાલિમ લેતો. રણમાં ભુલા પડેલાં અનેક વટેમાર્ગુઓ તરસથી તડપતાં હોય તેમનાં જીવ બચાવતો. ત્રણ વર્ષથી આમ જ વીર,ચાંદનાં પ્રકાશમાં મરુભૂમિમાં સેવાકાર્ય અવિરત કરતો રહયો. એક દિવસ વરસાદ બાદ શિયાળામાં રણનો માર્ગ ખૂલતાં રાજનાં રસાલા સાથે ઝીંઝુવાડાની રાજકુમારી મધુમતી અને તેમની અભ્યાસકાળની સખી વનવાસી રાજકુંવરી વસુંધરા આ રણનાં બેટ પર પધાર્યા. સૈનિકોએ બેટ પર તંબુઓ બનાવીને કૂંવરી માટે વ્યવસ્થા કરી અને ભોજનની તૈયારી કરી. આ તરફ વીર તો પોતાની ભીતર છલકતી મોજમાં જ સેવા કરતો. વણબોલે તે લાકડાઓનો ભારો લાવીને સૈનિકોને આપતો. અદભુત સૌંદર્યવાન વનવાસી કૂંવરી વસુંધરાની નજ઼ર આ વીર પર પડી. એક જ નજરમાં તે પારખી ગઈ કે આ કોઈ મહાન શૂરવીર યૌદ્ધા છે. લાગ મળતાં જ તે સખી રાજકુમારીને આ વીર જુવાન વિશે વધુ જાણવાની ઈચ્છા પ્રગટ કરી. રાજકુમારી મનમાં હસીને સૈનિકોને બોલાવી પેલા સતત કામ કરતા અજાણ્યાં યુવક વિશે પૂછપરછ કરતાં સૈનિકે ખુશ થઈને કહ્યું,"કુંવરીબા, એ તો વીર છે. આ આખા બેટ પર